ગઈકાલે ખરાબ હવામાનના પગલે મુકાબલો સ્થગિત કરાયો હતો ત્યારે ઓસ્ટ્રીયાના ડોમીનીક થીએમ વિશ્વના ટોચના ખેલાડી નોવાક જોકોવિચ બાસઠ છત્રીસ એકત્રીસ થી આગળ હતો પેરીસ ખાતે રમાઈ રહેલી ફેચ ઓપન ટેનીસ સ્પર્ધામાં નોવાક જોકોવિચ અને ડોમીનીક ચિએમ વચ્ચે અધુરો રહેલો સેમી ફાઈનલ મુકાબલો આજે ફરી શરૂ થશે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં આજે કાર્ડફમાં બાંગ્લાદેશનો મુકાબલો ઈગ્લેન્ડ સાથે થશે વિદેશ મંત્રીએ એક ટવીટર પરના સંદેશામાં કહયું કે ભારત અને ભુટાન વચ્ચે વિશેષ મિત્રતાને કારણે હંમેશા હિમાલયના રાષ્ટ્રોના પ્રમુખના માર્ગદર્શનથી લાભ થયો છે પ્રતિયોગીતામાં સતત વરસાદ ગઈકાલે પછી મેદાનનું ઘણીવાર નિરીક્ષણ કર્યા પછી એમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય કર્યો બંને નેતાઓ ભેગા મળીને માલદીવ રાષ્ટ્રીય સંરક્ષણ બળનું નવુ સ્થપાયેલ પ્રશીક્ષણ કેન્દ્ર શરૂ કરશે બે દિવસની મુલાકાતના પ્રથમ ચરણમાં શ્રી મોદી માલદીવ પહોચશે અને ત્યાંના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમદ સોલહ અને અન્ય વરિષ્ઠ નેતાઓને મળશે ત્રીસ આકાશવાણી સમાચાર જાગૃતિ પંચાલ વાંચે છે આ અગાઉ અરજી જમા આરતી ભટ્ટ રાખડી આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા બજારમાં રંગબેરંગી રાખડીઓ આવી ગઈ છે એ વચ્ચે કચ્છ જીલ્લાની હસ્તકલા ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ મહિલા સશક્તિકરણ સાથે વેસ્ટ પ્લાસ્ટિક નો ઉપયોગ દ્વારા રાખડીઓ બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે નવ થી બાર એકમ કસોટી રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટ ઇન એડ અને સ્વનિર્ભર શાળાઓમાં એક સમાન રીતે ધોરણ નવ થી બાર માં એકમ કસોટી તેમજ સત્રાંત અને વાર્ષિક પરીક્ષા લેવા બાબતે શિક્ષણ સોમવાર વીસ જુલાઈ બે હજાર વીસ વિભાગના ઠરાવથી નિર્ણય છે તે મુજબ રાજ્યની તમામ શાળાઓમાં કોવિડ ઓગણિસ ને અનુલક્ષીને વિદ્યાર્થીઓ દ્વારા હોમ લર્નિગ વધુ અસરકારક રીતે થયે તે અંગે જરૂરી કાર્યવાહી કરવા પણ શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે કચ્છની જાણીતી અને હસ્તકલા ક્ષેત્રે અગ્રણીન સંસ્થાઓ જેવી કે ખમીર કસબ શ્રુજન કલારક્ષા વીઆરડીઆઈ સામેલ છે મહિલાઓને રાખડી બનાવવા માટે બેંગલોર સ્થિત સંસ્થા દ્વારા આર્થીક સહાય અપાશે અને ચાલીસ હજાર રાખડીઓ બનાવવાનો અંદાજ છે ઉલ્લેખનીય છે કે તેવીસ મી માર્ચથી સંસદનું સત્ર અનિશ્ચિત મુદત માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું વેંકૈયા નાયડુ એ જણાવ્યું કે કેન્દ્ર સરકારે તાજેતરમાં સંસદનું ચોમાસું સત્ર યોજવા અંગે ગૃહોના પ્રિસાઇડિંગ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી તેમને જણાવ્યું કે કોરોના રોગચાળાને લગતી તમામ બાબતો પર સંસદ વિચારણા કરી રહી છે ઉલ્લેખનીય છે કે લોકડાઉનના સમયગાળામાં નોંધણી કરાયેલા બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને એક હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી હતી વૈજ્ઞાનિકોને આશા છે કે વર્ષના અંત સુધીમાં આ વાયરસ સામે રક્ષણ આપતી રસી શોધી જશે હાલમાં હ્યુમન કલીનીકલ ટ્રાયલ હાથ ધરવામાં આવી રહી છે શ્રી નાયડુ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા એ કોવીડ ઓગણિસ થી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે સંસદના ચોમાસું સત્ર અને સમિતિઓની બેઠકોના સંચાલન અંગે અનેક ચર્ચા કરી છે।